વિરોધ પક્ષની છાવણીમાં સામેલ કેટલાક મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ, જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી; રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, સીપીઆઇએમ, નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, સીપીઆઇએમએલ અને સીપીઆઈ સામેલ છે.: જોકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને એનસીપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે પવાર મંગળવારે મંત્રણામાં ભાગ લેશે. ખડગેએ કહ્યું કે મેં તેમને એમ કહેવા માટે ફોન કર્યો હતો કે તેમના માટે આવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તે જુલાઈએ સવારે આવી રહ્યા છે, તેની કોઈ ચિંતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોઈ સમસ્યા નથી, દરેક જણ આવી રહ્યું છે. મમતાજી આવી રહ્યા છે, કેજરીવાલજી આવી રહ્યા છે, નીતિશજી, તેજસ્વીજી, સ્ટાલિનજી. પટનાની બેઠકમાં હાજર લોકો કરતા વધારે લોકો અમારી સાથે જોડાણ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે વિપક્ષની જેમ જ તે જ દિવસે બોલાવવામાં આવેલી એનડીએની બેઠકની મજાક ઉડાવી હતી. તેમણે સોમવારે બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે એનડીએમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.